ચુસ્ત-દાણાવાળું લાકડું હોવાને કારણે, અખરોટના લાકડાના ફર્નિચરની ડિઝાઇનને સરળ અંતિમ સ્પર્શ આપવા માટે જાણીતું છે. કામ કરવું સરળતાથી સરળ હોવાથી તેમાંથી સુંદર ફર્નિચર અને ટુકડાઓ બનાવી શકાય છે. ભારતમાં અખરોટના લાકડાની સરેરાશ કિંમત નો આંકડો ઉપલબ્ધ નથી. તમે ખુરશી, ટેબલ અને બુકશેલ્ફ ડિઝાઇન કરવા માટે અખરોટના લાકડાનો ઉપયોગ કરી શકો છો. કેરીના લાકડાની ફર્નિચર ડિઝાઇન. કેરીનું લાકડું ફર્નિચર ડિઝાઇન માટેના સૌથી લોકપ્રિય પ્રકારોમાંનું એક છે. તે બહુવિધ પરિમાણોમાં ઉપલબ્ધ છે અને આધુનિક ફર્નિચર ડિઝાઇન માટે વિવિધ આકારોમાં ઉપયોગ કરી શકાય છે. ભારતના વિવિધ રાજ્યોમાં કેરીનું લાકડું ઉપલબ્ધ છે. લાકડું ગોલ્ડન બ્રાઉન રંગનું હોય છે અને તેનો ઉપયોગ સ્ટોરેજ કેબિનેટ, કોફી ટેબલ વગેરે જેવા ફર્નિચર બનાવવા માટે થાય છે. તેનો ઉપયોગ રસોડામાં એક્સેસરીઝ, ડાઇનિંગ ટેબલ અને કટલરી બનાવવા માટે પણ થાય છે. લાકડાના ફર્નિચરની ડિઝાઇન હજુ પણ માંગમાં કેમ છે? શ્રેષ્ઠ લાકડાના ફર્નિચર વિશેના પ્રશ્નો હજુ પણ શોધ પ્રશ્નોમાં પ્રચલિત છે. બજારમાં વિશાળ માત્રામાં આધુનિક વિકલ્પોની ઉપલબ્ધતા હોવા છતાં, લોકો હજુ પણ તેમના ઘરો, ઓફિસો વગેરે માટે લાકડાના ફર્નિચરની સારી ડિઝાઇન રાખવાનું પસંદ કરે છે. ઈતિહાસ જીવંત સાક્ષી તરીકે ઊભો છે કે ભારતીય લાકડાના ફર્નિચરની ડિઝાઇન દ્વારા કોતરવામાં આવેલી ડિઝાઇન અને ફર્નિચર વિષમ સમયનો સામનો કરીને નિશ્ચિતપણે ઊભાં રહ્યાં છે. તેનો વારસો અને અસર ફક્ત આધુનિક વિકલ્પો દ્વારા બનાવી શકાતી નથી. પરંપરાગત કલાકૃતિઓ માટેના અમારા શાશ્વત પ્રેમે અમારા ઘરોમાં લાકડાના ફર્નિચરની ડિઝાઇનનું સ્થાન કાયમ માટે સ્થાપિત કર્યું. લાકડું સરળતાથી ઉપલબ્ધ હોવાથી અને તેના અસંખ્ય લાભો અને ફાયદાઓને કારણે પણ તેનો ઉપયોગ વ્યાપક છે. વધુમાં, કૃત્રિમ વિકલ્પો કરતાં લાકડું ચોક્કસપણે વધુ મોંઘું છે, પરંતુ તે હજુ પણ ઘણા ભારતીય પરિવારોના બજેટમાં આવે છે. લાકડાના ફર્નિચરની નિયમિત સફાઈ કેવી રીતે કરવી? અમે અમારા લાકડાના ફર્નિચરને નિયમિતપણે ધૂળ, સાફ અને ચમકાવીએ છીએ. જો કે, ધૂળ અને પોલિશ સમય એ મળી જાય છે, કારણે ટેબલ, ખુરશીઓ અને છાજલીઓ પર ડાર્ક ફિલ્મ બને છે. તમારા ફર્નિચરને સમયાંતરે ઊંડી સફાઈની જરૂર હોય છે જેથી તે તેના શ્રેષ્ઠ દેખાઈ શકે. લાકડાના ફર્નિચરને તેની પૂર્ણાહુતિ ગુમાવ્યા વિના તેને કેવી રીતે સાફ કરવું તે માટેની કેટલીક ટીપ્સ નીચે આપેલી છે. ગંદકી દૂર કરવા માટે પહેલા તમારા લાકડાના ફર્નિચરને ધૂળ કરો. એકવાર તે પૂર્ણ થઈ જાય, ફર્નિચરમાંથી હળવી ગંદકી દૂર કરો. શરૂઆતમાં હળવી ક્લીનીંગ નો ઉપયોગ કરો અને પછી જો જરૂરી હોય તો વધુ મજબૂત ક્લીનરનો ઉપયોગ કરો.